વાસ્તુ મુજબ નેમ પ્લેટઃ ડાર્ક બ્રાઉન બેકગ્રાઉન્ડ સામે આછો બ્રાઉન અહીં આગળના દરવાજાના ઉપરના ભાગમાં તાંબાની બનેલી નાની અને આકર્ષક નેમપ્લેટ સુંદર લાગે છે. ટેક્ષ્ચર ડિઝાઇનવાળા આગળના દરવાજા સાથેનું લાકડું તમારા ઘર અને પરિવારના સભ્યો માટે ઘણી સારી ઊર્જાના પ્રવેશ બિંદુ તરીકે કામ કરે છે. વાસ્તુ મુજબ નેમ પ્લેટનો ઉપયોગ કરવાના નિયમો મુજબ તેને હંમેશા સાફ અને સ્પષ્ટ દેખાતી રાખો. વાસ્તુ મુજબ નેમ પ્લેટ માટે ડાર્ક અને લાઇટ બ્રાઉન શેડ્સ વાસ્તુ મુજબ ઘરે સ્ટડી ટેબલ માટે શ્રેષ્ઠ દિશા, બેડરૂમમાં મની પ્લાન્ટ મૂકવાની વાસ્તુ ટિપ્સ, વાસ્તુ મુજબ બેડરૂમ ફર્નિચર પ્લેસમેન્ટ ટિપ્સબેડરૂમ વાસ્તુ ટિપ્સને અનુસરવા માટે સરળ, લગ્ન અને સારા સંબંધો માટે વાસ્તુ ટિપ્સ, ઘર માટે વાસ્તુ દિશાઓઘર વાસ્તુ માટેવાસ્તુ ટિપ્સ અજમાવો!, વાસ્તુ ચાર્ટ શું છે? ઘર માટે વાસ્તુ ચાર્ટ. જાણવા જેવી બાબતો., ફ્લેટ ટિપ્સ માટે વાસ્તુતમને લાભ આપવા માટે, વાસ્તુ અનુસાર દિવાલોના રંગો,વાસ્તુ મુજબ નેમ પ્લેટઃ લાકડાના દરવાજાની બાજુમાં ઘન સફેદ તમારા મનપસંદ ઘર માટે લાકડાનો દરવાજો સારો વિકલ્પ છે. તે લાકડાના આગળના દરવાજાની બાજુમાં સફેદ કલરની દીવાલમાં મોટી અને જગ્યા ધરાવતી નેમપ્લેટ, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારા અને તમારા પરિવારના સભ્યો માટે આકર્ષણ અને સમૃદ્ધિ, સારી તકો અને સુખાકારી લાવવાનું માનવામાં આવે છે. દરવાજાના આગળના ભાગને નિયમિત રીતે સાફ કરો. વાસ્તુ મુજબ નેમ પ્લેટઃ વુડ-ફિનિશ સાથે સફેદ રંગ સારી રીતે જાય છેવાસ્તુ મુજબ નેમ પ્લેટઃ સાદી સફેદ નેમ પ્લેટ કાળો રંગનો લાકડાનો દરવાજો ઓફિસ બિલ્ડિંગની ગ્રેશ લીલી દિવાલોના કોન્ટ્રાસ્ટ કલર તરીકે ખૂબસારો લાગી શકે છે. અહીં નાની પણ સ્પષ્ટ સફેદ રંગની નેમ પ્લેટ કલરના લાકડાના દરવાજા સાથે સુંદર રીતે મેળ ખાય છે. શબ્દો સુવાચ્ય છે, તેથી વાસ્તુ અનુસાર સારી પસંદગી છે. વિચારનો ઉપયોગ કોમર્શિયલઓફિસ સ્પેસદુકાનો વગેરે માટે થઈ શકે છે. વાસ્તુ મુજબ સાદી નેમ પ્લેટવાસ્તુ મુજબ નેમ પ્લેટઃ સ્લીક વ્હાઇટ નેમ પ્લેટ તમારા ઘર અથવા ફ્લેટના પ્રવેશદ્વારને સુશોભિત કરવા માટે ચારકોલ કાળા આગળના દરવાજાના ઉપરના મધ્ય ભાગમાં શુદ્ધ સફેદ સ્લીક નેમ પ્લેટ એક સારો વિચાર છે. હંમેશા ખાતરી કરો કે નેમપ્લેટ વ્યક્તિનું નામ અને ઘરનો નંબર લખવા માટે પૂરતી જગ્યા ધરાવતી હોય અને વાસ્તુ પ્રમાણે ઓછામાં ઓછા એક ફૂટ દૂરથી સ્પષ્ટપણે દેખાતી હોય. વાસ્તુ મુજબ ન્યૂનતમ નેમ પ્લેટવાસ્તુ મુજબ નેમ પ્લેટઃ પરંપરાગત ધાતુની નેમ પ્લેટ કોઈપણ મકાન કે ઘરના દરવાજા મુખ્ય દરવાજાના રંગની જેમ સફેદ દરવાજો ખૂબઆકર્ષક લાગે છે. લાકડાની આકર્ષક પરંતુ સ્ટાઇલિશ નેમ પ્લેટ બિલ્ડિંગનાસમગ્ર આગળના વિસ્તારને એક વિશેષ લાવણ્ય આપે છે. જો તમારે વાસ્તુ મુજબ દરવાજા માટે નેમ પ્લેટના નિયમોનું પાલન કરવું હોય તો નેમ